પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. એક સમયના ગુગલી માસ્ટર હવે પીડિત બન્યા છે. એક એવા રાજકારણનો ભોગ બન્યો છે જ્યાં પદની મહત્વાકાંક્ષાએ પાર્ટીને જ વિભાજિત કરી દીધી છે. ઘણા વર્ષો પછી મહારાષ્ટ્રમાં તેમની ઘટી રહેલી રાજનીતિનો અહેસાસ કરાવ્યો છે. એનસીપીમાં ભાગલા અને ભાજપની રણનીતિ માનવામાં આવે છે કે વિપક્ષની એકતાનો પહેલો પાયો પટનામાં નાખવામાં આવ્યો હતો. તેવા સમયે શરદ પવાર સાથે થયેલી આ રાજકીય રમતે જમીન પર બધું જ બદલી નાખ્યું છે. સ્થિતિ એ છે કે અજિત પવારના એક દાવે ભાજપની નવી રણનીતિને ખૂબ જ સ્પષ્ટ કરી દીધી છે. પ્રાદેશિક પક્ષોને તોડવા, તેમને પોતાના પક્ષમાં લાવવા અને એનડીએને ફરી મજબૂત કરવું. હાલ આ મિશન સાથે ભાજપ માટે આગળ વધી રહ્યું છે. તેને જોતાં એવું માનવામાં આવે છે કે ભાજપ પહેલાં કોઈ પણ ભોગે ફરી પોતાને મજબૂત કરવા માગે છે. એવી પણ અટકળો છે કે બિહારમાં પણ કોઈ ગેમ રમાઇ શકે છે. કારણ કે એવા સમાચાર છે કે નીતિશ તેજસ્વીને આગામી સમયમાં બિહારના મુખ્યમંત્રી બનાવી શકે છે.